વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનામ ભારતના પાડોશી દેશની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નહીં. વડાએ કહ્યું કે આ સમયે આખા વિશ્વને પાકિસ્તાન પાસેથી શીખવાની જરૂર છે. વડાએ એક નિવેદનમાં, કોરોના વાયરસના સાથેના યુદ્ધમાં પાકિસ્તાનની સરકારની વ્યૂહરચનાને ટેકો આપ્યો હતો, જ્યાં કોવિડ નો સામનો કરવા માટે વર્ષો પહેલા બનાવેલ પોલિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આશરો લેવામાં આવ્યો છે. તેમણે બાળકોને ઘરે-ઘરે પોલિયો રસી પૂરી પાડવા માટે પાકિસ્તાનના કમ્યુનિટી હેલ્થ વર્કર્સની પણ પ્રશંસા કરી. પાકિસ્તાનમાં તેનો ઉપયોગ સર્વેલન્સ, તપાસ અને સંપર્કમાં રહેલા લોકોની સંભાળ માટે કરવામાં આવ્યો હતો. પરિણામે, દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. ઝફર મિર્ઝાએ પણ અધનામના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાનના પ્રયાસોએ ઘણી આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી છે. વડાએ પાકિસ્તાન ઉપરાંત ઘણા વધુ દેશોની પ્રશંસા કરી હતી, જેણે વાયરસથી સામનો કરવામાં સફળ રહ્યા હતા. આ યાદીમાં તેમણે થાઇલેન્ડ, કંબોડિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, રિપબ્લિક કોરિયા, રવાન્ડા, સેનેગલ, ઇટાલી, સ્પેન અને વિયેતનામ જેવા દેશોનો સમાવેશ કર્યો છે. ઝફર મિર્ઝાએ એક ટ્વિટમાં લખ્યું છે કે, "ડબ્લ્યુએચઓ ડાયરેક્ટર જનરલે પાકિસ્તાનને તે દેશોમાં ગણતરી કરી છે જ્યાંથી આખી દુનિયાએ ભવિષ્યમાં કોરોના સામે લડવાનું શીખવું જોઈએ.